આપણે અહીં ઘણી ઘણી સદીઓ માટે છીએ અને અમે વિશ્વમાં અવાજ નાખવાનો પ્રયાસ રહ્યા છીએ, કે આપણે આપણો પ્રદેશ, આપણી પ્રકૃતિ સુરક્ષિત કરવાની જરૂર છે અને તમે ક્યારેય અમને સાંભળતા નથી. ક્યારેય નહીં. હું માનું છું કે આ કટોકટી માનવતા શીખવી રહી છે કે હવે તમારે અમને સાંભળવાની જરૂર છે અને સ્વદેશી લોકોને સીધાટેકો આપવા માટે, તેમની પહેલને સીધો ટેકો આપવા માટે. તેથી આ સંદેશ છે કે મને તમને છોડવાનું ગમશે. તે સ્વદેશી લોકો પાસે જવાબ છે, અને જો તમે એમેઝોનને સાચવવા માંગતા હોવ, તો આપણે હવે પગલાં ભરવા પડશે. ધન્યવાદ. શાહરૂખ ખાન: હિંમત, નિશ્ચય, અને એકમાત્ર દ્રષ્ટિ. આ ગુણો છે સૌથી મોટી પ્રાપ્તકર્તાઓમાં સામાન્ય છે. આ તે બહાદુર હૃદય છે જેના માટે નિષ્ફળતા એ કોઈ વિકલ્પ નથી. આપણને એક અપ્રગટ સમુદ્ર જે દેખાય છે, આગલા વક્તાને એક મંચ છે, તે કરવા માટે થયો હતો. તો ચાલો સીધા ડાઇવ કરીએ. અમારા નિર્ભીક વક્તાની વાર્તામાં, ભક્તિ શર્મા. જે વિશ્વમાં મોજા બનાવે છે લાંબા અંતરની તરણ. ભક્તિ શર્મા. ભક્તિ શર્મા: કલ્પના કરો, રાજસ્થાનની ગરમીમાં ગરમ ઉનાળાની બપોરે, અઢી વર્ષ જૂનું તેની મમ્મીની પાછળ મોપેડ પર સવાર, તેઓ ક્યાં ગયા હતા તે જાણતા નથી અને વીસ મિનિટ પછી, તે અઢી વર્ષની વયે પોતાને શોધે છે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા. હું જાણતા પહેલા, હું લાત મારતી, છલકાતી, ચીસો પાડતી, પાણી નીચે દબાવવું, મારા પ્રિય જીવન માટે મારી મમ્મીને પકડી રાખવું. આ રીતે મેં કેવી રીતે તરવું તે શીખી. મેં પૂલ-સ્વિમિંગ શરૂ કર્યું,થાય જ્યારે હું અઢી વર્ષની હતી, અને ખુલ્લા પાણીનો તરણ જ્યારે હું ચૌદ વર્ષની હતી. જ્યારે તમે કોઈ રમત સાથે ખૂબ સમય પસાર કરો છો, તે ફક્ત તે જ થવાનું બંધ કરે છે અને અરીસો બની જાય છે અને તે બતાવે છે કે તમે ખરેખર કોણ છો. તમે જુઓ છો કે રમતવીર તરીકે તમારી સૂક્ષ્મતા રેસ પર જ પરીક્ષણ કરવામાં આવતું નથી, પરંતુ દરેક એક દિવસ, જ્યારે રમત માંગ કરે છે કે તમે ઉભા થાઓ સવા રેસાડા ચાર વાગ્યે, બે કલાક તરવું, શાળાએ જાઓ, પાછા આવો, ત્રણ કલાક તરવું, ઘરે જાઓ, ખાઓ અને સૂઈ જાઓ. જ્યારે તમે ચંદ્રક જીતી લો અથવા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, આ દર્પણ સુખ બતાવે છે જે તમે અને તમારા પ્રિયજનોને લાગે છે, પણ તમે વહી ગયેલા આંસુને પણ પ્રતિબિંબિત કરે છે. બધા જાતે, એકલા પાણીમાં ખુલ્લું પાણી સ્વિમિંગ ખૂબ જ એકલાની રમત છે. મેં કલાકો વીતાવ્યા છે .અનંતમાં જોવું, મારી નીચે દેખાય તેવું તરતું સમુદ્ર,